દરેક માળ પર જુદી ઓક્સીજન લાઈન બેકઅપ નાખવાની પ્રક્રિયા ચાલુ કરેલ છે શ્રી માંડવિયા એ આ પ્રસંગે જણાવ્યું છે કે આ પ્રોટીન પાવડર પ્રોટીનબાર અને ધાત્રી માતાઓ માટે પૂરક પોષક તત્વો યુક્ત સપ્લિમેન્ટ પાવડર હવે સસ્તા દરે જાહેરજનતા માટે ઉપલબ્ધબનશે અને કુપોષણને દેશવટો આપી શકાશે હોસ્પીટલમાં સીસીટીવી કેમેરાથી સતત દેખરેખ પણ રખાશે જામનગર ખાતે કોવિડની લડાઈ વધુ અસરકારક બને તે હેતુથી રાજ્યના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર બે દિવસની જામનગરની મુલાકાતે છે જ્યાં તેમણે કોવિડ હોસ્પીટલો કોવિડ કેર સેન્ટરો યુ દરેક વોર્ડમાં ઓનલાઈન એન્ટ્રી અને ડેટાની ચોક્કસ માહિતી રહે તે માટે ટેબલેટ અપાશે ગુર ગોવિંદસિંહ હોસ્પીટલ ખાતે યોજાયેલી બેઠકમાં કોવિડ હોસ્પીટલ અંગેના અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે કોવિડના દર્દીના સગાઓને હોસ્પીટલ ખાતેથી તેમના સ્વાથ્યની જાણ થતી રહે તે માટે હેલ્પ ડેસ્ક શરૂ કરાશે તેમજ કાઉન્સેલિંગ પણ કરાશે રાજ્યના આયુષ મંત્રાલયના નિયામક સુશ્રી ભાવનાબેને જામનગરમાં નિઃશુલ્ક ઉકાળા સહિત આર્સેનિક આલ્બમ અને શમશની વટીનું વિતરણ કરવાનું આયોજન કર્યું હતું તેમણે ઘરગથ્થુ ઉપાયમાં ગરમ પાણી પીવા નવશેકું હળદરવાળું દૂધ પીવા નાકમાં કોપરેટ અથવા ગાયના ઘીના ટીપા નાખવા તુલસી મરી સૂંઠ અજમાની હર્બલ ટીનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરવા ખાસ અનુરોધ કર્યો હતો પાંચ જામનગર જામનગરની કોવિલ હોસ્પિટલ માટે વધુ એક હજાર બસ્સો પથારીની વ્યવસ્થા કરવામાં આવશે તેમજ ખાસ પેશન્ટ એટેન્ડન્ટ એટલે કે દર્દી સહાયકની નિમણૂક કરાશે જ્યાં વધુ આઈ ગઈકાલે કોરોનાના લીધે સોળ જણાના મૃત્યુ નીપજતા રાજ્યમાં કોરોનાના લીધે મૃત્યુ પામનારની સંખ્યા ત્રણ હજાર ચોસઠ થઈ છે પ્રાદેશિક સમાચાર રૂપલ જાનિ વાંચે છે યુ વેન્ટીલેટર સહિત વધુ બેડ તાત્કાલિક ધોરણે તૈયાર કરવામાં આવશે વીસ સાત મહેસાણા જિલ્લામાં આજે વધુ બે કોરોના પોઝીટીવ કેસ નોંધાતા કુલ કેસોની સંખ્યા બસો બાવીસ થઇ છે જૈના વૈજ્ઞાનિક પરીક્ષણ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની મદદ લેવામાં આવી હતી આર યોગએ સર્વાગી સ્વાચ્ય અને તંદુરસ્તી માટેનું સાધન છે માંડવીમાં પાંચ ઇંચ પોરબંદરમાં ત્રણ ઇંચ ખંભાળિયામાં બે ઇંચ કલ્યાણપુરમાં બે ઇંચ રાણાવાવામાં એક મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું કે ભારતના યોગનો આ પ્રાચીન વારસો હવે વિશ્વભરમાં સ્વીકૃતિ પામ્યો છે તે સૌ માટે આનંદ અને ગર્વની વાત છે ગત એક માસ દરમિયાન વિવિધ એજન્સીઓ સહિત પોલીસને હાથે અંદાજે ત્રણ કરોડનાં ચરસનો જથ્થો ઝડપાયો છે ત્યારે ગતરાત્રિએ સુલેમાન પીરથી સિંઘોડી વચ્ચેના કાંઠા પરનાં સર્ચ ઓપરેશનમાં મરીન પોલીસના હાથે લાગેલો આ જથ્થો મોટી સફળતાનું પ્રતિક છે સૂર્યગ્રહણ આજે વર્ષનો અંતિમ સૂર્યગ્રહણ રાજ્યમાં આંશિક રીતે સિત્તેર ટકા જોવા મળ્યો હતો પોરબંદરમાં ગઇકાલે સાંજથી આજ સવાર સુધીમાં સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ થયો છે આજે વર્ષનો અંતિમ સૂર્યગ્રહણ રાજ્યમાં આંશિક રીતે જોવા મળ્યો સૂર્યગ્રહણને ખગોળરસિકોએ ઉત્સાહ અને ઉમંગથી માણ્યો આજે વહેલી સવારે મોડાસા શહેરમાં પાંચ તો બાયડના ડેમાઈ ગામે કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે વીસ છ સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના નવ્વાણું દર્દીઓ કોરોના મુક્ત થઈ ઘરે ગયા છે વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પોઝીટીવ કેસોમાં વધારો નોંધાતા જિલ્લા મેજીસ્ટ્રેટ આર।